તેથી ગંભીરતામાં વિડિઓ ગેમ્સ અને સમુદાયો ખરેખર તદ્દન સંબંધિત છે. આપણા પ્રારંભિક માનવ ઇતિહાસથી અમે અમારું મનોરંજન નાના આદિવાસીઓ સાથે કર્યું. અમે કેમ્પફાયરની આસપાસ વાર્તાઓ શેર કરી, અમે સાથે ગાયાં, અમે સાથે નાચ્યાં. અમારું પહેલું મનોરંજન શેર કરેલા અને અરસપરસ બંને હતા. તે માનવ ઇતિહાસના તાજેતર સુધીમાં ખૂબ ભવ્ય ન હતી. તે ક્રિયાપ્રતિક્રિયા એ પાછીપાની કરી અને સમગ્ર મનોરંજન પૂર્ણ થયું. રેડિયો અને રેકોરડર્સ આપણા વાહનોમાં, આપણા ઘરોમાં સંગીત લાવ્યા. ટીવી અને વીએસએસ રમતો અને નાટક આપણા ઘરોમાં લાવ્યા. મનોરંજન પ્રસારણની આ રીત અદ અભૂતપૂર્વ હતી. તેણે લોકોને વિશ્વની આસપાસની આકર્ષક સામગ્રી આપી. તેણે લાખો લોકો માટે એક વહેંચાયેલ સંસ્કૃતિ બનાવી છે. અને હવે, જો તમારે મોર્ઝાટ સાંભળવું અથવા જોવું હોય તો તમારે અતિખર્ચાળ ટિકિટ ખરીદવાની અને ઓર્કેસ્ટ્રા શોધવાની જરૂર નથી. અને જો તમને ગાવાનું ગમતું હોય તો હું તમને દુનિયા બતાવી શકું છું તો પછી તમારી પાસે વિશ્વભરના લોકોની જેમ કંઈક સામાન્ય છે. પરંતુ આ અદ્ભુત પ્રવેશ સાથે અમે નિર્માતા અને ગ્રાહક વચ્ચે જુદા પડવાની છૂટ આપી, અને બંને વચ્ચેનો સંબંધ વધુ એક તરફી થયો. આપણે એવી દુનિયામાં દાખલ થયાં જ્યાં વ્યાવસાયિક નિર્માતાઓનો વર્ગ નાનો છે. અને આપણામાંના મોટા ભાગના દર્શકો બન્યા અને અંતે આપણા માટે ફક્ત તે જ સામગ્રીનો આનંદ માણી શકાય તે વધુ સરળ બન્યું. આનો પ્રતિકાર કરવાનો વલણ છે: અછત. અને કાફે સંસ્કૃતિનો મોટો ગેરલાભ ખર્ચાળ સમાચારપત્ર હતા જે મેળવવું મુશ્કેલ હતું, અને પરિણામે, લોકો કાફે પર જઈ કોપી વાંચતા અને એકવાર તેઓ કેફેમાં આવી જાય, તેઓ બીજા લોકોને મળી છાપું વાંચતા. તેઓ વાતચીત કરી વિચારોની આપલે કરે છે અને તેઓ એક સમુદાય બનાવે છે. તેવી જ રીતે ટીવી અને કેબલ વધુ ખર્ચાળ હતા અને તેથી તમે રમત ઘરે જોઈ શકતા નથી. તેના બદલે તમે સ્થાનિક બાર પર જઈ અને ત્યાં સાથી રમતના ચાહકો સાથે ખુશીથી પરંતું સમય જતા તકનીકીને આભારે મીડિયાની કિંમત ઘટી છે. આ વહેંચવાની આવડત જે લોકોને જોડે રાખતી હતી તે દૂર થઈ છે. આપણી પાસે આપણા મનોરંજન માટે કેટલાય વિકલ્પો છે અને હજી આપણી પાસે વધુ સરળ વિકલ્પો છે જેને એકલા વાપરી શકીએ છે. આપણા સમુદાયો પરિણામ ભોગવી રહ્યા છે. દાખલા તરીકે, રિપોર્ટ કરનારા લોકોમા ઓછામાં ઓછા બે ગાઢ મિત્રો હોય છે. હંમેશની નીચી સપાટીએ છે. હું માનું છું કે ભાગનું મુખ્ય કારણ કે આજનુ મનોરંજન આપણને અલગ થવા દે છે. આપણા સમાજના આ અનુકરણનું મુખ્ય વલણ: આધુનિક મલ્ટિપ્લેયર વિડિઓ ગેમ્સ. રમતો શેર કરેલા કેમ્પફાયર જેવી હોય છે.